ઇસરો વિક્રમ લેન્ડરને વચ્ચે ઉતારવા માંગતી હતી. જેના કારણે કેટલીક મર્યાદાઓ હતી. આ વખતે લેન્ડિંગનું ક્ષેત્રફળ કિલોમીટર રાખવામાં આવ્યું છે. એટલે કે ચંદ્રયાન- નું વિક્રમ લેન્ડર આટલા મોટા વિસ્તારમાં લેન્ડ કરી શકે છે. આ રોકેટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. મિનિટ બાદ ઈસરોએ જાહેરાત કરી કે તે પોતાની ચોક્કસ કક્ષામાં છે અને તેણે ચંદ્ર તરફની પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર સુંદરતાથી લોકોનું દિલ જીતી રહી છે. અભિનંદન ઇશરો! આશા છે કે તમે લેન્ડિંગમાં સફળ થશો. ડાયલને આ સાથે તેનો એક સુંદર ફોટો પણ ટ્વિટ કર્યો છે. ડાયલન શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન-સંબંધિત વીડિયો પણ બનાવે છે. ચંદ્રયાન ઓગસ્ટ લેન્ડિંગ કરે તેવી સંભાવના છે. જ્યારે ભાજપે જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ની બેઠક માટે પોતાના જૂના અને નવા સહયોગીઓને પણ આમંત્રણ આપ્યું છે, પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા. રાહુલ ગાંધી અને નીતિશ કુમાર: લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પક્ષોને પોતાની તાકાત બતાવવા માટે સત્તાધારી પાર્ટી ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. બીજી તરફ વિપક્ષી દળો પણ કોઈ કસર છોડવા માંગતા નથી. આવી સ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ પોતાની બીજી બેઠક જુલાઈએ બેંગલુરુમાં કરવા જઈ રહી છે. જ્યારે ભાજપે જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ની બેઠક માટે પોતાના જૂના અને નવા સહયોગીઓને પણ આમંત્રણ આપ્યું છે.